કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શનિવારે બિયારણની નવી જાતો વિકસાવીને, ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સહકારી સંસ્થાઓ દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરીને, ખર્ચ અસરકારક કુદરતી ખેતી પદ્ધતિઓ અપનાવીને દેશમાં નવી હરિયાળી ક્રાંતિ લાવવાનું આહ્વાન કર્યું હતું. શાહ ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક કંડલા બંદર નજીક નેનો લિક્વિડ ડીએપી ખાતરના ઉત્પાદન માટેના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ પ્લાન્ટ હશે અને શાહે જણાવ્યું હતું કે, તે એક વર્ષમાં કાર્યરત થઈ જશે. અને ભારત ખાતરમાં આત્મનિર્ભર બનવા તરફ કેટલાક વધુ પગલાં ભરશે. શાહે કહ્યું, "આનાથી ખાતર સબસિડી પર આશરે રૂ. " તેમણે કહ્યું કે, આ બચતથી કૃષિ બજેટમાં વધારો થશે. યોગાનુયોગ, એ લિક્વિડ નેનો યુરિયાનું માર્કેટિંગ શરૂ કરી દીધું છે. નેનો ખાતર ચોક્કસ ઉપયોગ માટે યોગ્ય છે, જેમ કે છંટકાવ દ્વારા પર્ણસમૂહનો ઉપયોગ અને સૂક્ષ્મ-સિંચાઈ તકનીકો દ્વારા રુટ-સિસ્ટમમાં વધુ સારી ડિલિવરી. કહે છે કે, પરંપરાગત દાણાદાર યુરિયા અને લાગુ કરવા માટે વપરાતી બ્રોડકાસ્ટ પદ્ધતિની તુલનામાં આ નવા પ્રવાહી ખાતરોમાં વધુ સારી રીતે કાર્યક્ષમતા છે. શાહે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ચોક્કસ ઉપયોગથી જમીનના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરમાં પણ ઘટાડો થશે. શાહે ખેડૂતોના પાક પર નેનો ખાતરના છંટકાવ માટે ડ્રોન ચલાવવા માટે યુવાનોને તાલીમ આપવા માટે ની પણ પ્રશંસા કરી હતી અને ખેડૂતોને તેમના પાકને વિવિધ નવી પ્રવૃત્તિઓ માટે નવા પેટા-નિયમો હેઠળ બહુહેતુક પાકમાં રૂપાંતરિત કરવા અપીલ કરી હતી. નવી હરિયાળી ક્રાંતિ પર અમિત શાહનો ભાર શાહે જણાવ્યું હતું કે, ખેડૂતોને "વાજબી" ભાવે ખાતરનો જરૂરી જથ્થો પૂરો પાડવાથી ચોક્કસપણે ખેડૂતોનું કલ્યાણ થશે અને ઉમેર્યું કે, દેશમાં બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. શાહે કહ્યું, "હું માનું છું કે આ દેશને ફરી એકવાર મોદીના નેતૃત્વમાં હરિયાળી ક્રાંતિની જરૂર છે. પરંતુ આ હરિયાળી ક્રાંતિ અલગ પ્રકારની હોવી જોઈએ. તેનો ઉદ્દેશ્ય માત્ર ઉત્પાદન ન હોવો જોઈએ. જ્યારે હું નવી હરિયાળી ક્રાંતિની જરૂરિયાત વિશે વાત કરું છું, ત્યારે મારો મતલબ એ છે કે, તે નવી હરિયાળી ક્રાંતિનું પરિમાણ વિશ્વને કુદરતી ખેતીનો માર્ગ બતાવવાનું હોવું જોઈએ – કુદરતી ખેતીની આગેવાની હેઠળની હરિયાળી ક્રાંતિ લાવીએ" શાહે કહ્યું કે, ભૂતકાળમાં, લોકો અનાજની માંગને પહોંચી વળવા ઘઉં અને ચોખાની આયાત પર નિર્ભર હતા, પરંતુ ભારત આજે અનાજના સંદર્ભમાં ભારત "આત્મનિર્ભર" બની ગયું છે. "આજે, આપણા વૈજ્ઞાનિકોની સખત મહેનત, એક પછી એક સરકારોના નક્કર પ્રયાસો અને અંતે, છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન મોદીના વૈજ્ઞાનિક અભિગમને કારણે, ભારત અનાજમાં આત્મનિર્ભર બન્યું છે.